તે યાર્ડના નિશાની માટે હતું, જેથી તે તેના પડોશીઓને બતાવી શકે કે તેની સંસ્કૃતિ જીવંત છે. હવે હીબ્રુ, કોર્નિશ અને ટ્યુનિકા ગ્રાઉન્ડવેલના ફક્ત ત્રણ ઉદાહરણો છે. દરેક ખંડ પર ભાષાની સક્રિયતાની અને પછી ભલે તે જુરીયા સ્પીકર્સ હોય ચેનલ આઈ આઇસમાંથી અથવા કેનસાયની સાંકેતિક ભાષા નૈરોબીના સ્પીકર્સ બધા સમુદાયો કામ કરે છે. ભાષાને સાચવવા અથવા ફરી દાવો કરવા એક વસ્તુ સમાન છે મીડિયા, તેથી તેમની ભાષા શેર અને શીખડવામાં કરી શકાય છે અને જેમ જેમ ઇન્ટરનેટ વધે છે.મીડિયા એક્સેસ ઍક્સેસ અને સર્વજનનું વિસ્તરણ, સાચવીને અને ફરીથી દાવો પૂર્વજોની ભાષાઓ હવે પહેલાં કરતાં વધુ શક્ય છે,તો તમારી પૂર્વજન્મની ભાષાઓ કઈ છે? ખાણ હીબ્રુ, ઈ ઈદ્દિશ, હંગ્રેરિયન અને સ્ક્રોટીન્સ ગેલિક, હું અંગ્રેજીમાં ઉછર્યો હોવા છતાં અને સદભાગ્યે મારા મારા માટેઆ દરેક ભાષાઓ ઓનલાઇન ઉપલબ્ધ છે. ખાસ કરીને હીબ્રુ તે મારા આઈ આઇફોન પર સ્થાપિત થયું, તે ગૂગલ ટ્રાન્સલેશન દ્વારા સપોર્ટે છે, તે પણ ધરાવે છે અને જ્યારે તમારી ભાષા વ્યાપકપણે સપોર્ટે નથી હું તમને તપાસ કરવા પ્રોત્સાહિત કરું છું, કારણ કે તકો છે, કોઈક, ક્યાંય, તે ઓનલાઇન મેળવવામાં શરૂ કર્યું છે. તમારી ભાષાને ફરીથી દાવો કરી રહ્યા છીએ અને તમારી સાંસ્કૃતિક અપનાવી તમારી જાતને બનવાની શક્તિશાળી રીત છે વૈશ્વિકરણના યુગમાં, કારણ કે મેં તાજેતરમાં શીખ્યા હીબ્રુ માં કહેવું, અમે હજી પણ અહીં છીએ. આભાર. વિશ્વભરના ઘણા લોકોની જેમ, આ ઉનાળાની શરૂઆતમાં મારા મિત્રો અને હું દિવસ ના હતા ફ્રાન્સમાં યોજાયેલા વિમેન્સ વર્લ્ડ કપ સાથે. અહીં અમે જોઈ રહ્યા છીએ આ અતુલ્ય રમતવીરો, ધ્યેયો આશ્ચજનક હતા, રમતો સ્વચ્છ અને આકર્ષક હતા, અને તે જ સમયે, ક્ષેત્રની બહાર, આ મહિલાઓ સમાન પગારની વાત કરી રહી છે, અને કેટલાક દેશોના કિસ્સામાં, તેમની રમત માટે કોઈપણ ચૂકવણી. તેથી, કારણ કે આપણે હળવાશથી ભ્રમિત હતા, અમે રમતોને જીવંત જોવા માંગતા હતા, અને અમે તમે એમાંથી એક નક્કી કર્યું યુ. એસ. માં સ્પેનિશ બોલતા નેટવર્ક અમારા પ્રારંભ માટેનું શ્રેષ્ઠ સ્થળ હતું. અને તે થોડી રમતો સુધી ન હતી ટૂર્નામેન્ટમાં કે મારો એક મિત્ર મારી સાથે વાત કરે છે અને કહે છે, "કેમ લાગે છે બધું બધું જેવું હું જોઈ રહ્યો છું મેકઅપની જાહેરાત છે અને ઘરેલું સફાઈ ઉત્પાદનો અને આ? " સ્પષ્ટ પણ લાગ્યું, અને મને ખબર નથી અમે તેના વિશે સંવેદનશીલ હતા અથવા હકીકત એ છે કે અમે જોઈ રહ્યા હતા આપણા જીવનમાં પુરુષો અને છોકરાઓ સાથે, પરંતુ તે થોડુંક સ્પષ્ટ પણ લાગ્યું કે આપણે મહિલાઓ બનવાનું લક્ષ્યાંક રાખીએ છીએ.